તેઓએ કહ્યું હતું કે, "અમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમે સરોગસી દ્વારા બેબીનું સ્વાગત કર્યું છે. પ્રિયંકાની આગામી ફિલ્મો: પ્રિયંકાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં 'એન્ડિંગ થિંગ્સ', 'ટેક્સ્ટ ફોર યુ' અને વેબ સીરિઝ 'સિટાડેલ'માં જોવા મળશે. આ સિવાય તે ફરહાન અખ્તરની ફિલ્મ 'જી લે ઝરા'માં પણ કામ કરતી જોવા મળશે, જેમાં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે તેની પાસે એમેઝોન સ્ટુડિયોની આગામી ફિલ્મ 'શીલા' પણ છે. જેમાં તે 'મા આનંદ શીલા'નું પાત્ર ભજવતી જોવા મળશે. પ્રિયંકાની આ ફિલ્મને બેરી લેવિન્સન ડિરેક્ટ કરી રહ્યા છે. પ્રિયંકાએ ફિલ્મ 'શીલા'માં અભિનય ઉપરાંત તેને પ્રોડ્યુસ પણ કરી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે. તસ્વીર વાઈરલ થતા ચાહકો આઘાતમાં, રશ્મિકા મંદન્ના અને વિજય દેવરકોંડા ની જોડી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ હિટ છે. બંનેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર ચાહકોને ખૂબ જ ગમે છે. માત્ર ઓનસ્ક્રીન જ નહીં પરંતુ ઓફસ્ક્રીન પણ બંનેની કેમેસ્ટ્રી અદભૂત છે, જેને જોઈને એવી અફવા પણ ઉડી હતી કે રશ્મિકા અને વિજય એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ સમાચાર પછી, ચાહકો સત્તાવાર રીતે આ સમાચાર સાચા થવાની રાહ જોઈ રહ્યા છે. આટલું જ